પરંતુ લાખો વર્ષોમાં, પ્રાચીન વૃક્ષો અને દરિયાઈ જીવનમાં સંગ્રહિત કેટલાક કાર્બન ખડક બની જાય છે અને કેટલાક અશ્મિભૂત ઇંધણ બની જાય છે: કોલસો, તેલ અને કુદરતી ગેસ. જ્વાળામુખી ફાટવા જેવી કુદરતી ઘટનાઓ ખડકોમાં ફસાયેલા કાર્બનમાંથી કેટલોક મુક્ત કરે છે. અને માનવીય પ્રવૃતિઓ, જેમ કે અશ્મિભૂત ઇંધણ સળગાવવામાં આવે છે, તે પણ પ્રાગૈતિહાસિક કાર્બનમાંથી કેટલોક મુક્ત કરે છે. આજે, મનુષ્ય દર વર્ષે ગ્રહ પરના તમામ જ્વાળામુખી કરતાં લગભગ સાહીઠ ગણો વધુ કાર્બન છોડે છે. તે પૃથ્વીના કાર્બન ચક્રમાં વધારો કરે છે તથા વાતાવરણ અને મહાસાગરોમાં બને છે. વધુ વૃક્ષો વાવવાથી મદદ મળશે, પરંતુ માત્ર વૃક્ષો આપણને શુન્ય સુધી પહોંચાડી શકતા નથી. ગ્લોબલ વોર્મિંગને રોકવાનો એક જ નિશ્ચિત રસ્તો છે. આપણે આ વધારાનું કાર્બન હવામાં છોડવાનું બંધ કરવું જોઈએ. મારું નામ ઓલાફુર એલિઆસન છે. હું એક કલાકાર છું. હું કુદરતી ઘટના સાથે કામ કરું છું, હવામાન, આબોહવા, પર્યાવરણ અને કોઈ કહી શકે, આપણું ભવિષ્ય? હું યુવા ચળવળથી ખૂબ પ્રેરિત હતો, કેવી રીતે ખરેખર યુવાનોએ પોતાને સંગઠિત કર્યા છે, પોતાને સાંભળવામાં આવે તે માટે. છેલ્લા કેટલાક સમયથી, મેં હકીકતમાં યુવા લોકો સાથે સહયોગ કર્યો છે, તેઓ પણ કલાકારો છે, આ કિસ્સામાં પ્રોજેક્ટ "અર્થ સ્પીકર" બનાવવા માટે જ્યાં આપણે, પુખ્ત વયના લોકો, તેમને સાંભળી શકીએ. તો તેઓની પર્યાવરણ વિશે, આબોહવા વિશે, ભવિષ્ય વિશે વાત સાંભળવામાં મારી સાથે જોડાઓ અને જુઓ કે તેઓ શું કહે છે. "અર્થ સ્પીકર" વડે હું જે જોઉં, તેના પર મારો અવાજ આપી શકું છું. તે આપણા માટે બોલવાનું અને વિશ્વ માટે આપણને સાંભળવાનું મંચ છે. હું મારી આસપાસની કોઈપણ વસ્તુ પર ચહેરો મૂકી શકું અને મારો સંદેશ કહી શકું. અરે માફ કરજો, હું તમને જૉઈ શકું છું. બાળકો નિષ્ણાતો હોઈ શકે છે. જ્યારે આપણે ભેગા થઈએ, ત્યારે આપણે જવાબો શોધી શકીએ છીએ. તમારે ફક્ત સાંભળવાનું છે. આપણા ભવિષ્ય માટે લડો. મને વધુ હજારવર્ષ જીવવામાં મદદ કરો. મને ભૂખ લાગી છે! તે આપણું ભવિષ્ય છે, અને વધુ ગરમ થઈ રહ્યું છે. તે ભવિષ્ય છે, અને વધુ ગરમ થઈ રહ્યું છે. જો મને ગમતો સંદેશ દેખાય, તો હું તેને મારા મિત્રો અને પરિવારને કહી શકું છું. તે ખૂબ જ સરસ છે કારણ કે, અમે અમારો અવાજ શેર કરી શકીએ છીએ, અમે અન્યને સાંભળી શકીએ, અને આ રીતે અમે જાણીએ છીએ કે અમે આ લડાઈમાં એકલા નથી. અને જો આપણામાંથી પૂરતા પ્રમાણમાં સંદેશા આવે છે.